કથ્થઈ રંગનો છાંયો માત્ર એક અદ્ભુત કોન્ટ્રાસ્ટ ઉમેરશે નહીં પણ ઓરડામાં હૂંફ અને સ્થિરતા પણ આપશે. બેડરૂમ માટે નારંગી અને સફેદ રંગનું સંયોજન લીલા અને લાકડાના ફ્લોરિંગમાં મોટા ચામડાના બેડ સાથેનો સ્ટાઇલિશ બેડરૂમ આનંદ, ખુશી, ઉત્સાહ અને સ્વતંત્રતા સાથે સંકળાયેલ નારંગી, જો કે મોટેભાગે, બેડરૂમ માટે શ્રેષ્ઠ પસંદગી છે. પરંતુ આપણે સમજીએ છીએ કે તે ખૂબ મેળવી શકે છે, તો શા માટે તેને તટસ્થ સફેદ સાથે જોડી શકાય? જેમ તમે ઉપરની છબી પરથી જોઈ શકો છો, એમ દીવાલ અથવા તો નારંગી રંગની એક પેનલ તમારા બેડરૂમને તે લાયક ઉત્તેજના આપે છે. જો કે, પરંપરાગત બેડરૂમનો રંગ નહીં, નારંગી, જ્યારે નરમ, હાથીદાંતના સફેદ રંગ સાથે જોડવામાં આવે છે, ત્યારે તે એક સરળ છતાં અદભૂત બેડરૂમ બનાવી શકે છે. બેડરૂમની દિવાલો માટે ઓરેન્જ બે કલર કોમ્બિનેશન બેડરૂમ માટે પીરોજ અને ક્રીમ પીરોજ દિવાલ સાથેનો આધુનિક છતાં સરળ બેડરૂમ પીરોજ એક સરસ રંગ છે. તે શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે. જ્યારે તમે તેને તમારા બેડરૂમમાં સામેલ કરો છો, ત્યારે તે સંચાર ખોલે છે અને તે રૂમમાં સમય વિતાવતા લોકો માટે વિચારોની સ્પષ્ટતા લાવે છે. તેને રંગેલું ઊની કાપડ જેવા તટસ્થ ટોન સાથે જોડી દો, અને તમારી પાસે એક બેડરૂમ છે જે અલગ અને સુંદર છે. જ્યારે પીરોજ આકર્ષક હશે પરંતુ તમારી જગ્યામાં ભાવનાત્મક સંતુલન બનાવશે, ત્યારે રંગેલું ઊની કાપડ નીચું રહેશે અને તેની વિરોધાભાસી છતાં મધુર સરળતા અને નમ્રતા સાથે પાણીની છાયાને ટેકો આપશે. બેડરૂમની દિવાલો માટે કાળો અને રાખોડી બે રંગનું સંયોજન જીત માટે કાળા અને રાખોડી ટોન સાથેનો છટાદાર આધુનિક બેડરૂમ! કાળો રંગ આંતરિક ડિઝાઇનના નિયમો અનુસાર કાર્યક્ષમતા અને સરળતાને દર્શાવે છે. ગ્રે ભવ્ય, ઠંડી અને રહસ્યમય છે. બંનેને એકસાથે લાવો, અને તમારી પાસે બેડરૂમ માટે બે રંગનું સંયોજન છે, તે અત્યાધુનિક અને છટાદાર છે. ઉપરની છબીની જેમ તમારા ફાયદા માટે ટોનમાં કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરો. કાળા ચારકોલ સાથે જોડાયેલી ટેક્ષ્ચર ગ્રે દિવાલ અને મેચ કરવા માટે ફર્નિશિંગ. સુંદર લાકડાના પલંગ અને ચામડાની થોડી બેઠકો સાથે રૂમમાં થોડું ગ્લેમર ઉમેરો, અને તમારી પાસે બેડરૂમ છે, જેની લોકો ખુશામત કરવાનું બંધ કરશે નહીં. બ્રાઉન અને વ્હાઇટ બેડરૂમ ન્યૂનતમ બેડરૂમમાં પ્લાયવુડમાં એક દિવાલ સરળ અને ખૂબસૂરત. જો તમે જીવનમાં થોડી સ્થિરતા શોધી રહ્યા છો, તો તમારા બેડરૂમમાં એક અગ્રણી શેડ તરીકે બ્રાઉન પસંદ કરો. રંગના મનોવિજ્ઞાન મુજબ, બ્રાઉન સ્થિરતા અને વિશ્વસનીયતાનો રંગ છે, અને જ્યારે તમારા બેડરૂમની દિવાલો પર ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ઊંડા આરામનું વાતાવરણ બનાવે છે. તે જગ્યામાં પ્રભુત્વ ધરાવતો છાંયો હોવો જરૂરી